વન-વોલ કિચન એક-દિવાલ કિચન લેઆઉટ સામાન્ય રીતે રસોડાની નાની જગ્યાઓમાં જોવા મળે છે જે કાર્યક્ષમતા અને કાર્યક્ષમતામાં વધારો કરે છે. તેમાં બેઝ કેબિનેટ પર ઉપલા અને નીચલા કેબિનેટ અથવા છાજલીઓ છે, જે આંતરિકમાં એક ઉત્તમ સૌંદર્યલક્ષી ઉમેરે છે. તેમાં બે કાટખૂણે દિવાલો સાથે કેબિનેટનો સમાવેશ થાય છે અને ઉપકરણો અને કાર્યક્ષેત્રની સ્થિતિ કરતી વખતે ઉચ્ચ સુગમતા પ્રદાન કરે છે. યુ-આકારનું રસોડુંલેઆઉટ પુષ્કળ સ્ટોરેજ પ્રદાન કરે છે અને મોટા રસોડા માટે આદર્શ છે. રસોડા માટે વાસ્તુ ટિપ્સ અહીં રસોડા માટે કેટલીક આવશ્યક વાસ્તુ ટિપ્સ છે જે સારી ઉર્જા અને સારા સ્વાસ્થ્યને આમંત્રિત કરવામાં મદદ કરે છેતમારા ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં તમારું રસોડું બનાવો અને તેના સ્થાન માટે દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ દિશા ટાળો. સફેદ, નારંગી, લીલો, પીળો, ગુલાબી અને ભૂરા જેવા રંગો પસંદ કરો કારણ કેરંગો સકારાત્મકતા વધારે છે અને રસોડાની જગ્યાઓ માટે શુભ માનવામાં આવે છે. તમારા રસોડાના પ્રવેશદ્વારને ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ દિશામાં રાખો અને તેને ખુલ્લું રાખવું જોઈએ. સારાંશસરળ કિચન ડિઝાઇન્સ રસોડાની ડિઝાઇનનો વિચાર આખરે વ્યક્તિગત પસંદગીઓ પર આવે છે. તે શરૂઆતથી સંપૂર્ણ નવનિર્માણ હોય અથવા હાલની થીમમાં થોડા ફેરફારો હોય, તમેસરળ રસોડાની ડિઝાઇન સાથે કાર્યક્ષમતા, વૈભવી અને વ્યાવસાયિકતાનો સ્પર્શ ઉમેરી શકો છો.